આ ગુજરાતી આર્ટીકલમાં અમે સરસ મજાનો જાણવા જેવું વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી રજુ કરી છે… અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જાણવા જેવું વિશે સંપૂર્ણ માહિતી એટલે કે વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો, એ બદલ ખુબ ખુબ આભાર. ગીઝાનો મહાન પિરામિડ લગભગ સંપૂર્ણ રીતે સાચા ઉત્તર સાથે જોડાયેલો છે. માચુ પિચ્ચુના પથ્થરો એટલા કડક રીતે ફિટ થાય છે કે તમે તેમની વચ્ચે છરી પણ સરકાવી શકતા નથી. સ્ટોનહેંજના બિલ્ડરોએ અયનકાળને ચોકસાઈથી ટ્રેક કર્યો. એન્ટિકિથેરા મિકેનિઝમે યાંત્રિક કમ્પ્યુટરની જેમ ગ્રહણોની આગાહી કરી હતી. ઉડાનના ઘણા સમય પહેલા, નાઝકા લાઇન્સ આકાશમાંથી શ્રેષ્ઠ રીતે દેખાય છે. ગોબેકલી ટેપે માટીકામ અથવા ધાતુના સાધનો પહેલાં બનાવવામાં આવ્યું હતું. બગદાદ બેટરીએ વીજળી ઉત્પન્ન કરી હશે. રોમનોએ એવું કોંક્રિટ બનાવ્યું જે હજુ પણ આધુનિક સૂત્રો કરતાં વધુ ટકાઉ છે. પેટ્રા પાસે રણમાં અદ્યતન જળ ઇજનેરી હતી. ટિયોતિહુઆકન સૌરમંડળના લેઆઉટને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ બચવાના પુરાવા સાથે મગજની શસ્ત્રક્રિયા કરતા હતા. હજારો વર્ષ પહેલાં આયુર્વેદિક ગ્રંથોમાં શસ્ત્રક્રિયાના સાધનોનું વર્ણન કરવામાં આવ્યું હતું. સુશ્રુત સંહિતાએ પ્લાસ્ટિક સર્જરી તકનીકોનું દસ્તાવેજીકરણ કર્યું છે. ઇમ્હોટેપ આર્કિટેક્ટ અને ચિકિત્સક બંને હતા. આજે એક્યુપંક્ચરમાં ઉપયોગમાં લેવાતા પ્રાચીન ચાઇનીઝ મેપ્ડ મેરિડીયન. ગ્રીક ચિકિત્સકો માનસિક બીમારીને અંધશ્રદ્ધાથી આગળ સમજતા હતા. પ્રાચીન હર્બલ દવાએ આધુનિક ફાર્માકોલોજીની આગાહી કરી હતી. ટ્રેપેનેશનનો ઉપયોગ વૈશ્વિક સ્તરે કરવામાં આવ્યો હતો અને કેટલાક દર્દીઓ બચી ગયા હતા. ઇજિપ્તવાસીઓ શરૂઆતના એન્ટિબાયોટિક્સ તરીકે મોલ્ડી બ્રેડનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન આહાર ઘણીવાર આધુનિક પોષણ વિજ્ઞાન સાથે મેળ ખાતો હતો. ખગોળશાસ્ત્રનો અભ્યાસ ટેલિસ્કોપ વિના આશ્ચર્યજનક ચોકસાઈ સાથે કરવામાં આવતો હતો. માયા લોકો શરૂઆતના યુરોપિયનો કરતાં સૌર વર્ષની ગણતરી વધુ સચોટ રીતે કરતા હતા. ચિચેન ઇત્ઝા સમપ્રકાશીય દરમિયાન સર્પ છાયા બનાવે છે. પ્રાચીન ભારતીયો ગ્રહોની ગતિની ચોક્કસ ગણતરી કરતા હતા. આર્યભટ્ટે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું સૂચન કર્યું. બેબીલોનીયનોએ ગણિત કોષ્ટકોનો ઉપયોગ કરીને ગ્રહોની સ્થિતિની આગાહી કરી હતી. પોલિનેશિયનો ફક્ત તારાઓ અને તરંગોનો ઉપયોગ કરીને મહાસાગરોમાં નેવિગેટ કરતા હતા. વાઇકિંગ્સ વાદળોમાં સૂર્ય શોધવા માટે સૂર્યપત્થરોનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન નકશાઓમાં સત્તાવાર